ઓપેકની બેઠક પછી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા. સટોડિયાઓને સજા કરવી, આયોજિત કાપ પણ તેલના ભાવમાં ઘટાડા પર સટ્ટાબાજી કરતા ઓઇલ શોર્ટ સેલર્સને સજા કરશે. સાઉદી ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલા સલમાને વેપારીઓને તેલ બજારમાં ભારે સટ્ટાબાજી સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે જેઓ તેલના ભાવ પર જુગાર રમે છે તેઓ "નરક જેવા" હશે. તેમણે રવિવારની મીટિંગ પહેલા તેમની ચેતવણીનું પુનરાવર્તન કર્યું, સટોડિયાઓને "સાવચેત રાખવા" કહ્યું હતું, જે ઘણા બજાર નિરીક્ષકો અને રોકાણકારોએ સંકેત તરીકે અર્થઘટન કર્યું કે વધુ આઉટપુટ કટ પર વિચાર કરી શકે છે. વોશિંગ્ટને એપ્રિલમાં કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી. પશ્ચિમે યુક્રેનમાં યુદ્ધ હોવા છતાં ભાવમાં ચેડાં કરવા અને રશિયાની બાજુમાં રહેવા માટે ઓપેકની વારંવાર ટીકા કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ તરીકે ઓળખાતો કાયદો પસાર કરવા વિચારી રહ્યું છે, જે બજારની મિલીભગત સાબિત થાય તો યુએસ પ્રદેશ પર સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપશે. એ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીની ટીકા કરી છે, જે પશ્ચિમની ઉર્જા નિરીક્ષક છે કે જેના માટે યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી મોટું નાણાકીય દાતા છે, ગયા વર્ષે તેલના સ્ટોક રિલીઝની હિમાયત કરવા બદલ એ દલીલ કરી હતી કે પ્રતિબંધોથી રશિયન પુરવઠામાં વિક્ષેપ પડશે તેવી ચિંતાને જોતાં કિંમતોમાં ઘટાડો કરવા માટે આ જરૂરી છે. કિંમતની મજબૂતાઈની આગાહીઓ ક્યારેય સાકાર થઈ શકી નથી, સ્ત્રોતો કહે છે કે તે રાજકીય રીતે પ્રેરિત છે અને યુએસ પ્રમુખ જો બિડેનના રેટિંગને વધારવામાં મદદ કરવા માટે રચાયેલ છે. યુનાઇટેડ સ્ટેટ્ જેણે મોટાભાગના શેરો બહાર પાડ્યા, તેણે કહ્યું કે તે થોડું તેલ પાછું ખરીદશે, પરંતુ પછીથી તેને નકારી કાઢ્યો હતો, જે વર્ષોમાં તેના સૌથી મોટા ઘટાડામાં હતો. ફક્ત ટેક્સટ સેવિંગ માટે રોકાણ કરવું કેટલું યોગ્ય છે? વોશિંગ્ટન સાથે તણાવ તરફથી વધારાના કાપ ફુગાવા સામે લડવાનો પ્રયાસ કરી રહેલા અગ્રણી ઉપભોક્તા રાષ્ટ્રો સાથે તણાવ વધારી શકે છે.